નારંગી, પીળો અને લાલ જેવા ગરમ રંગો પર્યાવરણ અને ભૂખને ઉત્તેજિત કરે છે. બરફીલા વાદળી અને નરમ ગુલાબી જેવા હળવા રંગો ખોરાકને વધુ પૌષ્ટિક બનાવે છે. રસોડા માટે તેજસ્વી રંગો ચૂંટો દરવાજા અને બારીઓનું શ્રેષ્ઠ સ્થાન દક્ષિણપૂર્વ દિશાને રસોઈ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, તેથી પ્રવેશ ફક્ત ઉત્તર અથવા પશ્ચિમ દિશામાંથીહોઈ શકે છે. રસોડામાં પ્રાથમિક બારી પૂર્વ દિશામાં હોવી જોઈએ જેથી સવારના સૂર્યના કિરણો સેનિટાઈઝ થાય. દક્ષિણ દિશામાં નાની બારીઓ મૂકી શકાય. રસોડાની બારીઓનું આદર્શ સ્થાન વાસ્તુ મુજબ ઘરે સ્ટડી ટેબલ માટે શ્રેષ્ઠ દિશા, વાસ્તુ મુજબ બેડરૂમ ફર્નિચર પ્લેસમેન્ટ ટિપ્સબેડરૂમ વાસ્તુ ટિપ્સને અનુસરવા માટે સરળ, લગ્ન અને સારા સંબંધો માટે વાસ્તુ ટિપ્સ, ઘર માટે વાસ્તુ દિશાઓઘર માટેવાસ્તુ ટિપ્સ અજમાવો!,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 જો કે, ધ્યાન રાખો કે રસોઈ બનાવતી વખતે તમારે પૂર્વ દિશા તરફ મુખ રાખવું જોઈએ. ભોજન બનાવતી વખતે ફાયદાકારક કિરણો આવકાર્ય છે. રસોઈ હોબનું પ્લેસમેન્ટ સિંકની સ્થિતિ રસોઈનો સ્ટવ અને સિંક એકસાથેહોય તે જરૂરી છે. જો સ્ટવ દક્ષિણ-પૂર્વ ખૂણામાં રાખ્યો હોય તો રસોડાની સિંક ઈશાન ખૂણામાં રાખવી જોઈએ. વાસ્તુ મુજબ રસોડામાં સિંકનું યોગ્ય સ્થાન વોટર ફિલ્ટરનું પ્લેસમેન્ટ પાણીનું ફિલ્ટર રસોડામાં ઈશાન દિશામાં રાખવું જોઈએ. એટલા માટે છે કારણ કે ઉત્તરપૂર્વ બાજુ સૂર્યના કિરણોને પહેલા જુએ છે અને સલામત વપરાશ માટે પાણીને જંતુરહિત કરે છે. યોગ્ય પાણી ફિલ્ટર સ્થિતિ ઇલેક્ટ્રિકલ ઉપકરણો માટે રસોડામાં વાસ્તુ ટિપ્સ રેફ્રિજરેટર્સ દક્ષિણ-પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમ રસોડાના ખૂણામાં મૂકવું જોઈએ. જોકે, માઇક્રોવેવ ઓવન પૂર્વ ખૂણામાં મૂકવો જોઈએ. રસોડામાં કોઈપણ એક્ઝોસ્ટ પંખા પૂર્વની દિવાલો પર મૂકવા જોઈએ. રસોડામાં વિદ્યુત ઉપકરણોનું પ્લેસમેન્ટ રસોઈ હોબની ઉપર સંગ્રહ કરવાનું ટાળો ગેસ સ્ટોવ ઉપર સંગ્રહ કરવાનું ટાળવું જોઈએ. તેને કાં તો ખુલ્લું રાખવું જોઈએ અથવા ચીમની ફીટ કરેલી હોવી જોઈએ. સ્ટોવની ઉપર કંઈપણ રાખવાથી આગના જોખમો પણ થઈ શકે છે. સ્ટોવ ઉપર કંઈપણ સંગ્રહ કરવાનું ટાળો વાસ્તુશાસ્ત્ર શું કરવું અને શું નહીં રસોડામાં તૂટેલી કે તૂટેલી વસ્તુઓ ક્યારેયરાખો. તમારે રસોડામાં દવાઓ રાખવાનું પણ ટાળવું જોઈએ. જ્યારે તમે રસોડામાં બારીના કિનારે તુલસી અથવા પુદીનાના છોડ રાખી શકો છો, ત્યારે કોઈપણ કાંટાવાળા છોડ મૂકવાનું ટાળો. સકારાત્મક વાતાવરણ બનાવવા માટે રસોડાને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. એક તેજસ્વી અને સ્વચ્છ મોડ્યુલર